અહીં તમને ટીમ ઇન્ડિયાના હારના ફાઈવ કારણો જણાવી રહ્યા છીએ. ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય ટેસ્ટ ક્રિકેટમાં ટીમો ટોસ જીત્યા બાદ બહુ ઓછી વખત બોલિંગ કરવાનું પસંદ કરે છે. રોહિત શર્માએ વાદળછાયા વાતાવરણનો હવાલો આપીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા જ દિવસે મોટો સ્કોર બનાવ્યો હતો. પ્રથમ દિવસે ટીમે થ્રી હંડ્રેડ ટ્વેન્ટી સેવન રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે સદી ફટકારી હતી. કાંગારુ ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ફોર હંડ્રેડ સિક્સટી નાઈન રન બનાવ્યા હતા. પહેલા દિવસે ખરાબ બોલિંગ પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાના બોલર્સે ખૂબ જ ખરાબ બોલિંગ કરી હતી. પ્રથમ દિવસે લંચ બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક સમયે સેવેનટી સિક્સ રનમાં થ્રી વિકેટ હતો. આ પછી ટ્રેવિસ હેડ આવ્યો અને તેણે સ્ટિવ સ્મિથની સાથે શાનદાર બેટિંગ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝ ચોથી ટી-ટ્વેન્ટી સ્પિનર્સ ફરી કરી શકે કમાલ, જાણો ફ્લોરિડામાં કેવી છે પિચ અને મોસમની સ્થિતિ? રોહિત શર્માની ટીમ ફોર ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરી હતી. ઉમેશ યાદવને રવિચંદ્રન અશ્વિનના સ્થાને રમાવડો ભારતને ભારે પડ્યું હતું. ઉમેશે પહેલા દિવસે ઘણી સાધારણ બોલિંગ કરી હતી. અશ્વિનને તક આપવાથી બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ એક વિકલ્પ મળ્યો હોત. સેવેનટી વન રનના સ્કોરમાં જ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયા માત્ર ટુ હંડ્રેડ નાઈન્ટી સિક્સ રન જ બનાવી શકી હતી. બીજી ઈનિંગ્સમાં ટીમ ઈન્ડિયાને ફોર હંડ્રેડ ફોર્ટી ફોર રનનો ટાર્ગેટ મળ્યો હતો. રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ બીજી ઇનિંગ્સમાં વિકેટો ફેંકી દીધી હતી. બધા ખેલાડીઓને સારી શરૂઆત મળી પરંતુ કોઇ પણ તેને મોટી ઇનિંગ્સમાં ફેરવી શક્યો નહીં. ઈજા પણ પડી ભારે ટીમ ઇન્ડિયાને આ મેચમાં જસપ્રીત બુમરાહ જેવા બોલર અને રિષભ પંત જેવા બેટ્સમેનની ખોટ પડી હતી. ઋષભ પંતે વિદેશમાં ઘણી મેચો મુશ્કેલ સ્થિતિમાંથી બચાવી છે. જ્યારે ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો ત્યારે તેણે ટીમને સંકટમાંથી ઉગારી હતી. કે. એસ. ભરતને કોઈ અનુભવ નથી. આ સાથે જ કેએલ રાહુલ પણ ઇજાના કારણે બહાર થઇ ગયો હતો. ઇંગ્લેન્ડમાં તેના ટેસ્ટ રેકોર્ડ સારા છે. આ સાથે જ ઈંગ્લેન્ડમાં જસપ્રીત બુમરાહ જેવા બોલરની ગેરહાજરીએ બોલિંગ આક્રમણને નબળી પાડી હતી. પ્રો કબડ્ડી લીગ, ગુજરાત જાયન્ટ્સ શ્રેષ્ઠ યુવા ખેલાડીઓનું સ્કાઉટિંગ કરવા કટિબદ્ધ છે. કોચ રામ મહેર સિંઘ પ્રો કબડ્ડી લીગ, ગુજરાત જાયન્ટ્સ શ્રેષ્ઠ યુવા ખેલાડીઓનું સ્કાઉટિંગ કરવા કટિબદ્ધ છે. કોચ રામ મહેર સિંઘ, ગુજરાત જાયન્ટ્સની ટીમ આકરી મહેનત કરી રહી છે. તેઓ વહેલી તકે દેશના શ્રેષ્ઠ ખેલાડીઓને સામે લાવવા માગે છે. ટીમ ચેન્નઈ અને દિલ્હીમાં ટ્રાયલ્સ યોજી રહી છે.